અને પાંચના જૂથને બદલે, અમે એક સમુદાય સંગઠન સાથે ભાગીદારી કરી અને પચીસ લોકોનું જૂથ બનાવ્યું. લગભગ બે વર્ષ સુધી કાગળપત્રો અને રાહ જોયા પછી, અમને જાણવા મળ્યું કે અમારું કુટુંબ છ અઠવાડિયાથી ઓછા સમયમાં વાનકુવર પહોંચવાનું હતું. પરિવારમાં ચાર પુત્રો અને એક પુત્રી હતી. તેથી અમે તેમના રહેવા માટે એક સ્થળ શોધવા દોડધામ કરી. અમને ઘર શોધવામાં ખૂબ નસીબ મળ્યું, પરંતુ તેમાં થોડું કામ કરવાની જરૂર હતી. તેથી મારા મિત્રો સાંજે અને સપ્તાહના અંતે ત્યાં આવ્યા અને રંગકામ કર્યું, સફાઈ કરી અને ફર્નિચર ગોઠવ્યું. જ્યારે મોટો દિવસ આવ્યો, ત્યારે અમે તેમના ફ્રિજમાં દૂધ અને તાજાં ફળો ભર્યાં અને અમારા પરિવારને મળવા માટે એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું. આ બધું દરેક માટે થોડું જબરજસ્ત હતું, ખાસ કરીને ચાર વર્ષના બાળક માટે. તેની માતા તેની બહેન સાથે ફરી મળી હતી, જે અગાઉ આ જ કાર્યક્રમ દ્વારા કેનેડા આવી હતી. તેઓએ પંદર વર્ષથી એકબીજાને જોયા નહોતા. તે ખૂબ જ અમૂર્ત લાગતું હતું. પહેલાં, જો કોઈએ અમને પૂછ્યું હોત કે શરણાર્થી સંકટમાં મદદ કરવા માટે મહિનામાં પંદર કલાક આપશો કે નહીં, તો અમે કદાચ ના પાડી હોત. પરંતુ જલદી અમે અમારા પરિવારને વાનકુવરમાં તેમના નવા ઘરે લઈ ગયા, આપણા બધાને એકસરખી લાગણી થઈ: અમે તેમને ખુશ રહેવામાં મદદ કરવા માટે જે કંઈ કરવું પડે તે કરીશું. આ અનુભવથી મને મારા સંશોધન વિશે થોડું વધુ ઊંડાણપૂર્વક વિચારવાની પ્રેરણા મળી. ઉદાહરણ તરીકે, એક પ્રયોગમાં અમે સહભાગીઓને થોડી રકમનું દાન યુનિસેફ અથવા નેટફ્લિક્સમાંથી કોઈ એકને કરવાની તક આપી. અમે આ સખાવતી સંસ્થાઓને ઇરાદાપૂર્વક પસંદ કરી હતી, કારણ કે બંને એક જ મહત્વપૂર્ણ લક્ષ્ય, એટલે કે બાળકોના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનું કામ કરતી હતી. પરંતુ મને લાગે છે કે યુનિસેફ જેવી મોટી અને વ્યાપક સખાવતી સંસ્થા સાથે, તમારું નાનું દાન કેવી રીતે ફરક પાડશે તેની કલ્પના કરવી થોડી મુશ્કેલ હોઈ શકે છે. તેનાથી વિપરીત, નેટફ્લિક્સ દાતાઓને એક નક્કર વચન આપે છે: દાનમાં આપેલા દરેક દસ ડોલર માટે તેઓ એક મચ્છરદાની પૂરી પાડે છે, જે બાળકને મેલેરિયાથી બચાવવામાં મદદ કરે છે. અમે જોયું કે જેટલા વધુ પૈસા લોકોએ નેટફ્લિક્સને આપ્યા, તેટલો વધુ આનંદ તેમણે પછીથી અનુભવ્યો હોવાનું જણાવ્યું. તેનાથી વિપરીત, જ્યારે લોકોએ યુનિસેફને પૈસા આપ્યા ત્યારે આ ભાવનાત્મક રોકાણ પરનું વળતર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયું. તેથી આ સૂચવે છે કે માત્ર યોગ્ય સખાવતી સંસ્થાને પૈસા આપવું હંમેશાં પૂરતું નથી. તમારે ચોક્કસ રીતે કલ્પના કરી શકવાની જરૂર છે કે તમારા પૈસાથી કેવી રીતે ફરક પડવાનો છે. અલબત્ત, ગ્રુપ ફાઇવ કાર્યક્રમ આ વિચારને એકદમ નવા સ્તરે લઈ જાય છે. જ્યારે અમે પ્રથમ વખત આ પ્રોજેક્ટ...